તમારી જાતને અનુભવો છો. તે અત્યંત અગન છે. તે પણ ઉછેર છે કેટલાક મોટા પ્રશ્નો આપણી સોનિક દુનિયા વિશે. શું કોઈ તફાવત પણ છે? જ્હોન કેજ આપણને યાદ અપાવે છે કે બીજો અવાજ મહત્ત્વનો છે. બધા અવાજો વિચારવા લાયક છે. આપણી પાસે જીવનભરની એક તક છે જેથી અમારા કાન ને રીસેટ કરી શકાય. અને જો આપણે વધુ સભાન બનીએ તો આપણે જે સાંભળીએ છીએ, આપણે બનીશું. આપણી દુનિયા વધુ સારી લાગે છે. શાંતિ ત્યારે નથી જ્યારે આપણે સાંભળતા નથી, પરંતુ જ્યારે આપણે સાંભળવાનું શરૂ કરીએ છીએ અને આ દુનિયાને સાંભળો તેની તમામ સૈનિક સુંદરતામાં. આ ત્રણ હિલચાલ છે, અને હું કહીશ કે ક્યારે. અત્યારે તમારી આસપાસના અવાજો અને લય સાંભળો, મોટા અને નરમ માટે સાંભળો, હાર્મોનિક, ડિસોનેન્ટ, અને બધી નાની વિગતો જે દરેક અવાજને યુનિક બનાવે છે. આ સમય કેન્દ્રિત કરો આ સોનિક ક્ષણમાં. ભવ્યતાનો આનંદ માણો સાંભળવા અને સાંભળવા નું. તો અહીં પહેલું આલો આંદોલન આવે છે. શરૂ કરી રહ્યા છીએ... હવે. આ છે બે મૂવમેન્ટ. તે બે મિનિટ અને ત્રેવીસ સેકન્ડ હશે. અને અહીં અંતિમ આંદોલન છે. તે એક મિનિટ અને ચાલીસ સેકન્ડ હશે. અને એ જ છે, અમે તે કર્યું. સાંભળવા બદલ આભાર. હું આજે સર્જનાત્મકતા વિશે થોડી વાતો કરવાની આશા રાખું છું. તમે જાણો છો, ઘણા લોકો ખરેખર સંઘર્ષ કરે છે પોતાને સર્જનાત્મક બનાવની પરવાનગી આપવા માટે. અને વ્યાજબી રીતે. મારો મતલબ કે આપણે બધા પોતાની પ્રતિભા વિશે શંકાસ્પદ છીએ. અને મને એક વાર્તા યાદ આવે છે જે મારા દાયકાની શરૂઆતમાં આવી હતી તે પ્રકારનો મારા માટે ઘણો અર્થ હતો. અને તે ન્યૂયોર્ક પાછા ફરી તેના બધા શિક્ષિત મિત્રોને મળ્યો, અને બધાને તેને કહ્યું, "શું તમને ખબર નથી કે લોકો વિચારે છે કે તમે મૂર્ખ છો, અને આખો દેશ તમારી મજાક ઉડાવે છે? " અને તેણે કહ્યું, "તે મારું કામ છે. હું એક કવિ છું, અને હું મૂર્ખ બન બનવાનો છું. મોટાભાગના લોકોને આખો દિવસ કામ પર જવું પડે છે, અને તેઓ ઘરે આવે છે અને તેમના જીવનસાથી સાથે લડે છે, અને તેઓ ખાય છે, અને જૂની બૂબ ટ્યુબ ચાલુ કરે છે, અને કોઈ મને કોઈ તેમને કંઈક વેચવાનો પ્રયાસ કરે છે, અને મેં તે બધા ખરાબ કરી દીધા. હું આગળ વધ્યો અને મેં કૃષ્ણ વિશે ગાયું, અને હવે તેઓ પથારીમાં બેઠા હતા અને જઈ રહ્યા છે, 'આ મૂર્ખ કવિ કોણ છે? ' અને તેઓ સુઈ શકતા નથી, બરાબર? " અને તે કવિ